લોકસભા ચૂંટણી કોંગ્રેસ એક્શન મૂડમાં મહારાષ્ટ્રનું રાજકારણ છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં છે. સાથે બગાવત કરીને અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપલ લીધા. ત્યારે અજીત પવારે કાકા શરદ પવાર સામે મોટી આફત ઉભી કરી દીધી છે. શરદા પવાર સામે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ની સાથે વિધાનસભા ચૂંટણીનું પણ દબાણ છે, કારણ કે રાજ્યમાં બંને ચૂંટણીઓ વર્ષબે હજાર ચોવીસ માં થવાની છે. આવા સમયમાં પક્ષમાં ભંગાણ થવું એ ગંભીર સમસ્યા નજર આવી રહી છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું મંથન મહારાષ્ટ્રમાં અને શિવસેના બંને પક્ષ નબળા વિભાજનનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસે આ સ્થિતિનો ફાયદો ઉઠાવી અઘાડી ના કાર્યકર્તાઓને નારાજ કર્યા વિના પક્ષનો વ્યાપ વધારવા અને તેને વધુ મજબૂત કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. જે માટે કોંગ્રેસ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ને લઇને અને શિવસેના સાથે બેઠકોની ફાળવણીની પણ તૈયારીમાં છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે મહારાષ્ટ્રના શીર્ષ કોંગ્રેસ નેતાઓની લગભગ પાંચ કલાક સુધી બેઠક યોજાઇ હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મંથન કરાયું હતું. કોંગ્રેસને મહારાષ્ટ્રમાં ઉંચકવાની 'સુવર્ણ' તક આ બેઠકમાં મુખ્ય બાબત અજીત પવારના કારણે અને શિવસેનામાં ચાલેલા રાજકીય ધમાસાણે રાજ્યમાં ગુમ થયેલી કોંગ્રેસને ફરીથી ઉંચકવાનો 'સુવર્ણ' અવસર આપ્યો છે. મહારાષ્ટ્ર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો. આ બેઠક એ વાતનો સંકેત છે કે હવે કોંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષી નેતા ના પદ માટેની તેની દાવેદારીથી પીછેહઠ નહીં કરે.. સ્વતંત્રતા દિવસને લઇ ગુપ્ચતર એજન્સીની ચેતવણી પંદર ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે મણિપુરના જૂથો વિરોધ પ્રદર્શનની આશંકા બે રાજ્યો વચ્ચેની હિંસા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો કેવી રીતે બની? રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓને હાંકલ કરી સૂત્રોના મતે, આ બેઠકમાં રાહુલ ગાંઘીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને કહ્યું હતું કે તેઓ તેના વ્યક્તિગત મતભેદ દૂર રાખીને એકજૂટ થઇ લોકસભા ચૂંટણી માટે પ્રચાર મૂડમાં આવે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે હવે નેતાઓએ મેદાને ઉતરવું જોઇએ અને સહયોગી સાથે પક્ષની સીટની વહેચણીના પરિણામોનો ઇંતજાર કરવો જોઇએ નહીં. જો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઇચ્છે છે કે પક્ષ શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરેથી નારાજ ન થાય. એક તરફ રાજ્યમાં રાજકીય પક્ષમાં ભંગાણ ખુલીને સામે આવી ગયું છે. ત્યારે કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નાના પટોલે એક નિવેદનમાં કહ્યું કે, રાજ્ય લીડરશીપ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરનારા